અમિત જાની: તે બિડેનની ટીમમાં રાજકીય પ્રચારક હતો. અમિત દક્ષિણ એશિયન સમુદાયના લોકોને ટેકો આપવામાં નિષ્ણાત છે. અમિત જાની અમેરિકામાં વોટ ધ્રુવીકરણ કરવામાં નિષ્ણાંત છે. રસપ્રદ વાત એ છે કે, અમિત જાની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક પણ છે. વિનય રેડ્ડી: વિનય રેડ્ડી જે બિડેન માટે ભાષણ તૈયાર કરે છે. તેથી તેમની બીડેન સાથે નિકટતા છે. તેઓને બિડેનની ટીમમાં શામેલ કરી શકાય છે. સંજીવ જોશીપુરા: તેમનું મુખ્ય કામ બિડેન અને કમલા હેરિસ માટે ભારતીયોના સમર્થનને એકત્રિત કરવાનું હતું. સંજીવ જોશીપુરા 'સાઉથ એશિયન ફોર બાયડેન' નામના સંસ્થાના પ્રમુખ છે, જે 'નેશનલ કાઉન્સિલ ફોર ઈન્ડિયન્સ ફોર બિડેન' હેઠળ રચાયેલ છે. તેની રચનાનો મુખ્ય હેતુ હેરિસને તમામ ધર્મ અને પૃષ્ઠભૂમિના ભારતીયોનો ટેકો આપવાનો છે. તે આ અંગે ખૂબ જ સક્રિય છે. સબરીના સિંઘ: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતીય-અમેરિકન સબરીના સિંઘને તેના પ્રેસ સચિવ તરીકે પસંદ કર્યા. સબરીના વિશેની ખાસ વાત એ છે કે તેના પરિવારનો અમેરિકામાં ઊંડો પ્રવેશ છે. તે અમેરિકન રાજકારણ વિશે પણ ઊંડી સમજ અને ઓળખ ધરાવે છે. આ બધા સિવાય સોનલ શાહ, ગૌતમ રાઘવન, વનિતા ગુપ્તા પણ આ યાદીમાં સામેલ છે. બિડેનની જીતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.